તેમણે એક ટ્વીટમાં કહ્યું કે શ્રી જો બાઈડનને સફળ કાર્યકાળની શુભકામના અને તેમને આશા છે કે તેમના કાર્યકાળમાં બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું કે તેઓ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોઇના પ્રત્યે ભેદભાવ રાખશે નહીં છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ઓગણપચાસ હજારથી વધુ દર્દીઓ સાજા થતા કોવિડને માત આપનારની સંખ્યા ઇઠ્યોતેર લાખ અડસઠ હજારથી વધુ થઇ છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડનને અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અને સુશ્રી કમલા હેરિસને ઉપરાષ્ટ્ર પ્રમુખના રૂપમાં ચૂંટાવા બદલ અભિનંદન આપ્યા હતા પોલીસ જવાનો માટે બરાક અને અન્ય યોજનાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી આ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે પ્રતિભાવમાં શ્રી તીર્થ મહેતાએ હવે ભારત માટે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક મેળવવાની અભિલાષા વ્યક્ત કરવા સાથે આભાર માન્યો હતો રાત્રે બાર વાગે શંખનાદ ભેરી ઢોલ ત્રાંસા સાથે નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે મંદિરોમાં ભકતોની ભીડ જામશે મુખ્ય ઉત્સવ ઉત્તરપ્રદેશમાં મથુરા અને વૃંદાવનમાં ઉજવાશે જનરલ હોસ્પિટલમાં આયુર્વેદ ઓપીડી માટે મહેકમ મંજૂર થયું છે જેથી ભવિષ્યમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઉપરાંત વધુ એક જગ્યાએ સુવિધા ઉપલબ્ધ થશે જેમાંથી દસની નિમણૂંક કરવામાં આવી છે જિલ્લામાં વિવિધ સ્થળોએ મટકી ફોડ મહાઆરતી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે રાજ્યભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય ડો તેમજ વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી આશુતોષ અંતાણી જન્માષ્ટમીની ઉજવણી કચ્છ સમગ્ર રાષ્ટ્ર તથા રાજ્ય સહીત કચ્છ જિલ્લામાં પણ પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાક્ટયોત્સવ જન્માષ્ટમી પર્વની ભારે શ્રધ્ધાથી ભક્તિભાવપૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે નીમાબેન આચાર્ય ભુજ સુધરાઈ અધ્યક્ષા સુશ્રી લતાબેન સોલંકી તેમજ વડનગરા નાગર જ્ઞાતિ સમાજ દ્વારા તીર્થનું ભાવભેર સમાન કરવામાં આવ્યું હતું જિલ્લામાં પુરાણ પ્રસિધ્ધ નારાયણ સરોવર ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે મંદિર પરિસરોને ભારે રોશનીથી શણગારવામાં આવ્યા છે આતોષ અંતાણી ભુજ એશિયનગેમ્સ પદક વિજેતાઓનું સન્માન તાજેતરમાં ઈન્ડોનેશિયાના જાકાર્તા ખાતે સંપન્ન થયેલા અઢારમાં માં એશિયન રમતોત્સવમાં ઈસ્પોર્ટસ હાર્થસ્થોનમાં ભારતને પ્રથમ ચંદ્રક અપનાવનારા ભુજના યુવાન તીર્થ હિરેનભાઈ મહેતાનું ભુજ આવી પહાચતા સન્માન કરવામાં આવ્યું હતું બેઠક બાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા થશે અને બે દેશો વચ્ચે દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર થશે જિલ્લામાં મુખ્ય કૃષ્ણ મંદિરો, હવેલીઓ તેમજ સ્વામી નારાયણ મંદિરોમાં આજે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાયપ્રસના પ્રમુખ નિકોસ એના સ્ટાસીયાઓ સાથે નિકોસામાં રાષ્ટ્રપતિના નિવાસ સ્થાને બેઠક યોજાઈ છે બાલકૃષ્ણને પંચ્યાજીરી પંચામૃત અને છપ્પનભોગ ધરાવાશે રાજ્યના મુખ્ય મંદિરોમાં ભવ્ય રીતે કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવું ભારત દરેકને ઘણી તકો પૂરી પાડે છે ત્યારે નવા ભારતના ઘડતરમાં સક્રિય ભૂમિકા ભજવવા સાયપ્રસમાં રહેતા ભારતીયોને અનુરોધ કર્યો તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા મથક ભુજની કિડની ડાયાલિસીસ દર્દીઓના લાભાર્થે આ બ્લડ કેમ્પમાં એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ ભુજ તથા અદાણી।